સ્ટેમ સેલને ફરીથી ઇન્જેક્શન આપતા હોવાની બાબતે દવેએ કહ્યું હતું કે, જ્યારે આપણે નાના હોઈએ ત્યારે શરીરમાં કરોડો સ્ટેમ સેલ હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે, સ્ટેમ સેલ્સ મૃત્યુ પામે છે. તેથી જ હું ઉપવાસ પણ કરું છું. આમાં જ્યારે શરીર ખોરાકને પચાવતો નથી ત્યારે તે પોતે જ સમારકામ કરે છે. ડેવ ક્રિઓથેરાપી પર પણ આધાર રાખે છે. લાઈફસ્ટાઈલ ગુરુ તરીકે જાણીતા ડેવ કહે છે કે, ટૂંક સમયમાં તેની વય વધારવાની પદ્ધતિ ઘરે ઘરે લોકપ્રિય થશે. જેથી શરીરની આખી સિસ્ટમ સુધારી શકાય. તે કહે છે, 'મેં મારી જાતને એવી રીતે બનાવી છે કે ખોરાક પર કાબુ મેળવીને, સૂવાની રીત બદલીને અને વૃદ્ધાવસ્થા નિવારણ પદ્ધતિઓ અપનાવીને શરીરમાં ઓછામાં ઓછી બળતરા થાય. તેણે કહ્યું કે સંભવત: તેની પાસે પૃથ્વી પરની કોઈપણ વ્યક્તિ કરતા વધુ સ્ટેમ સેલ છે. ડેવ, જેણે પોતાના સ્ટેમ સેલ ફરીથી તેના શરીરમાં મૂક્યા છે. તેઓ કહે છે કે જ્યારે તમે નાના છો, ત્યારે તમારા શરીરમાં ઘણા બધા સ્ટેમ સેલ હોય છે. આ સ્ટેમ સેલ શરીરને શક્તિશાળી રાખે છે. પરંતુ પાછળથી તેમની સંખ્યા ઓછી થાય છે. ક્રિઓથેરાપી કોલ્ડ થેરેપી તરીકે ઓળખાય છે. શરીરના ક્ષતિગ્રસ્ત પેશીઓને નીચા તાપમાને સારવાર આપવાની આ પ્રક્રિયા છે. રસપ્રદ વાત એ છે કે, હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક માર્ક એલેને સ્ટેમ સેલ્સથી વય સંબંધિત મુશ્કેલીઓને ઘટાડવા માટે એક કંપની બનાવીને કામ શરૂ કર્યું છે.